કેટલીક જગ્યાએ તેઓને અગ્નિવંશી તરીકે વર્ણવવામાં આવ્યા છે, પરંતુ તેઓ મૂળભૂત રીતે સૂર્યવંશી છે. મિહિરભોજ ગુર્જર પ્રતિહાર વંશના રાજા રામભદ્રના પુત્ર અને નાગભટ્ટ ના પૌત્ર હતા. જે ગુર્જર પ્રતિહાર વંશના સૌથી જાજરમાન રાજા હતા. સમ્રાટ મિહિર ભોજ રાજા ભોજના મિત્ર કાબુલના લાલિયા શાહી રાજા, કાશ્મીરના ઉત્પલ વંશના રાજા અવંતિ વર્મન અને નેપાળના રાજા અને આસામના રાજા રાઘવદેવ હતા. તે સમયે સમ્રાટ મિહિર ભોજના દુશ્મનો પાલવંશી રાજા દેવપાલ, દક્ષિણના રાષ્ટ્ર કટુ મહારાજ અમોધવર્ષ અને આરબ ખલીફાઓ મૌતસિમ વાસિક, મુતવક્કલ, મુન્તાશીર, મૌતમિદાદી હતા. પાલ વંશના શાસક દેવપાલના મૃત્યુ પછી, ભોજે તેના અનુગામી નારાયણને હરાવ્યા અને પાલ સામ્રાજ્યના મોટા ભાગ પર કબજો કર્યો. દક્ષિણના રાષ્ટ્રકુટ રાજા અમોધવર્ષને હરાવીને, તેના પ્રદેશોને તેના સામ્રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યા. સિંધના આરબ શાસક ઈમરાન બિન મુસાને સંપૂર્ણપણે હરાવીને, સમગ્ર સિંધને ગુર્જર સામ્રાજ્યનો અભિન્ન અંગ બનાવી દેવામાં આવ્યો. સિંધમાં આરબો પાસે માત્ર મન્સૌરા અને મુલતાન બે જ સ્થાનો બચ્યા હતા કારણ કે ગુર્જર સમ્રાટના ભીષણ હુમલાઓથી બચવા માટે આરબોએ અનમહફૂઝ નામની ગુફાઓ બનાવી હતી, જેમાં આરબો પોતાનો જીવ છુપાવતા હતા. રાજા ભોજ ગુર્જર ઇચ્છતા ન હતા કે આ બે સ્થળોએ પણ આરબો સુરક્ષિત રહે અને વધુ મુશ્કેલી ઊભી કરે, તેથી તેણે ઘણી મોટી લશ્કરી ઝુંબેશ મોકલી અને ગુર્જર સામ્રાજ્યની પશ્ચિમી સરહદો, ઇમરાન બિન મુસાનું અનમહફૂઝ નામનું સ્થાન જીતી લીધું.